અત્યારે જે ચાલી રહ્યું છે તે માત્ર એક અફવા છે. કોને ખબર, આદિવાસી સમુદાયની જે ચિંતાઓ છે યુસીસીમાં તેનું સમાધાન હોય. પડકાર ફક્ત પૂર્વોત્તરમાં જ નથી ભાજપને યુસીસી પર માત્ર પૂર્વોત્તર તરફથી પડકાર મળી રહ્યો નથી. આંધ્રપ્રદેશના સત્તા પક્ષ વાયએસઆરસીપીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે સમાન નાગરિક સંહિતાની તરફેણમાં નથી. વાયએસ જગન મોહન રેડ્ડીના નેતૃત્વવાળી વાયએસઆરસીપી સાથે ભાજપના સારા સંબંધો છે. હાલમાં જ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ભારે હાર બાદ ભાજપ પહેલા વાયએસઆરસીપીને નજીક રાખવા માંગશે. તેવી જ રીતે અકાલી દળે યુસીસીનો વિરોધ કર્યો છે. ભલે તે એનડીએ ગઠબંધનમાં ન હોય પરંતુ હાલના સમયમાં ફરી ગઠબંધનમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. દેશપીએમ નરેન્દ્ર મોદીભાજપયુનિફોર્મ સિવિલ કોડ અમિતાભ બચ્ચને સોનિયા ગાંધીના એક મહાન જ્યોતિષ પાસે 'જન્માક્ષર' બનાવ્યા, રાજકારણમાં ન જવાની સલાહ આપી અમિતાભ બચ્ચને સોનિયા ગાંધીના એક મહાન જ્યોતિષ પાસે 'જન્માક્ષર' બનાવ્યા, રાજકારણમાં ન જવાની સલાહ આપી બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. તેજી બચ્ચન અને ઈન્દીરા ગાંધી મિત્ર હતા. ત્યારબાદ ગાંધી અને બચ્ચન પરિવારના બાળકો, સંજય ગાંધી, રાજીવ ગાંધી, અમિતાભ બચ્ચન, અજિતાભ બચ્ચન સાથે રમીને મોટા થયા. બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચે વર્ષો જૂનો સંબંધ રહ્યો: બચ્ચન અને નેહરુ-ગાંધી પરિવાર વચ્ચે લગભગ છ દાયકા ગાઢ સંબંધ રહ્યા. વરિષ્ઠ પત્રકાર રશીદ કિડવાઈએ તેમના પુસ્તક 'નેતા અભિનેતા બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઈન્ડિયન પોલિટિક્સ'માં જણાવ્યું છે કે, કેવી રીતે દાયકાઓનો આ સંબંધ કેટલીક ઘટનાઓ પછી સંપૂર્ણપણે વિખેરાઈ ગયો. અલ્હાબાદના 'આનંદ ભવનમાં' બંને પરિવારો વચ્ચે મિત્રતા ખીલી. કિડવાઈના પુસ્તકમાં જણાવાયું છે કે, વર્ષ ઓગણીસો બેતાલીસ માં સરોજિની નાયડુએ હરિવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચનને પ્રથમ વખત નેહરુ પરિવારમાં આમંત્રણ આપ્યું હતું. ત્યાં, ઇન્દિરા ગાંધી અને તેજી બચ્ચન વચ્ચે મિત્રતા થઈ, જે જીવનભર ટકી રહી. તેજી બચ્ચન સાથે મિત્રતા કર્યાના થોડા સમય પછી, ઇન્દિરાએ પારસી ફિરોઝ ગાંધી સાથે પણ લગ્ન કર્યા. ઈન્દિરા ગાંધીના પિતા જવાહરલાલ નેહરુ આ લગ્નની વિરુદ્ધ હતા. જો કે, મહાત્મા ગાંધીના હસ્તક્ષેપ પછી, તેમણે લગ્નને સ્વીકારવા પડ્યા. આમ, તેજી બચ્ચન અને ઈન્દિરા ગાંધી વચ્ચે સામાન્ય વાત હતી કે, બંનેએ પોત-પોતાના ધર્મની બહાર લગ્ન કર્યા હતા. અમિતાભ બચ્ચન પણ આને બંને પરિવારો વચ્ચે ગાઢ મિત્રતાનું એક કારણ માને છે. બંને પરિવારના બાળકો સાથે રમતા હતા ઈન્દિરા ગાંધીના પુત્રો રાજીવ ગાંધી અને સંજય ગાંધી, બીજી તરફ, તેજી બચ્ચનના પુત્રો અમિતાભ બચ્ચન અને અજિતાભ બચ્ચન, સાથે મોટા થયા હતા. અમિતાભ બચ્ચન રાજીવ ગાંધી કરતા બે વર્ષ મોટા હતા. બંને પરિવાર લગભગ એક જ સમયે અલ્હાબાદથી દિલ્હી શિફ્ટ થઈ ગયા. રાજીવ અને સંજય ગાંધીની જેમ, અમિતાભ અને અજિતાભ માટે વડા પ્રધાન જવાહરલાલ નેહરુના નિવાસસ્થાન તીન મૂર્તિ ભવનની મુલાકાત સામાન્ય હતી. બંને પરિવારના બાળકોએ અલગ-અલગ શાળાઓમાં અભ્યાસ કર્યો. પરંતુ બધાએ સાથે મળીને રજાઓની ઉજવણીઓ કરી હતી. અમિતાભના કહેવા પ્રમાણે, અમે બધા રજાઓમાં રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતા હતા.